તેની સામે મારા બાનું આ વિધાન વારંવાર વિવાદમાં આવતી. મલ્ટિવિટામીન ઇન્ડસ્ટ્રી અંગે ફરીથી વિચારવાનું મન થાય એવું ઇંધણ પૂરું પાડે છે. કોરોના પછી લોકોનો અભિગમ બદલાયો. ભારત સહિત અનેક દેશોમાં આઝાદી પછી જન્મેલી પેઢીએ યુદ્ધો, કુદરતી આપત્તિઓ, ચંદ્ર પર માનવનું આગમન, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોવિડ જેવી મહામારી જોઇ છે. કોવિડ પછી લોકોના જીવન જીવવાના અભિગમમાં પણ મોટો બદલાવ આવ્યો છે. મલ્ટિવિટામીન ઉદ્યોગ ઝડપથી વિકસતું ક્ષેત્રનું આ જ કારણ છે કે મલ્ટિવિટામીન અને ડાયટરી સપ્લિમેન્ટ ઉદ્યોગ આજે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા હેલ્થકેર ક્ષેત્રોમાંનો એક છે. વૈશ્વિક સપ્લિમેન્ટ બજાર આગામી વર્ષોમાં સેંકડો અબજ ડોલર સુધી પહોંચે તેવી આગાહી કરવામાં આવે છે. ઠંડા પ્રદેશોમાં રહેતા લોકોમાં વિટામીન ખામી. આપણે શાળામાં વિજ્ઞાનમાં ભણ્યા હતા કે વિટામિન એવા કાર્બનિક પોષક તત્વો છે. જે શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે ઓછી માત્રામાં પણ જરૂરી હોય છે. શરીર મોટાભાગના વિટામિન પોતે બનાવી શકતું નથી, તેથી તે ખોરાક અથવા સપ્લિમેન્ટ્સ દ્વારા મેળવવા પડે છે. ખાસ કરીને શાકાહારીઓ અને ઠંડા પ્રદેશોમાં રહેતા લોકોમાં વિટામિન જેવી ખામીઓ જોવા મળે છે. જે સપ્લિમેન્ટ દ્વારા પૂરી કરવામાં આવે છે. વિવિધ વિટામિન અને ખનિજ તત્વોના સંયોજનરૂપ મલ્ટિવિટામીન આજે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉદ્યોગોમાં સામેલ છે. વિટામિન અને ડાયટરી સપ્લિમેન્ટ માર્કેટનું મૂલ્ય સેંકડો અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા-પેસિફિક પ્રદેશ તેના મુખ્ય બજારો છે. આદિમાનવથી લઇને વડીલો મલ્ટિવિટામીન વગર જીવ્યા, આદિમાનવથી લઈને આપણા બા-દાદાની પેઢી સુધીના લોકો કોઈ મલ્ટિવિટામીન વિના જીવ્યા, અને કદાચ વધુ સારું સ્વાસ્થ્ય પણ ભોગવી ગયા. ખેતરમાં દિવસભર કામ કરવું, પગપાળા મુસાફરી કરવી, અનાજ દળવું કે કૂવામાંથી પાણી ભરવું જેવી જીવનશૈલી સામાન્ય હતી. આજે પણ અનેક જનજાતિઓ અને સમાજો જંગલમાં ઉગતી વનસ્પતિઓથી ઉપચાર કરે છે. આ બધું એક જ પ્રશ્ન ઊભો કરે છે. શું મલ્ટિવિટામીન ખરેખર જરૂરી છે? વર્ષો સુધી થયેલા સંશોધનો અને મોટા અભ્યાસો સૂચવે છે કે, સંતુલિત અને પૌષ્ટિક આહાર લેતા લોકો માટે મલ્ટિવિટામીન હૃદયરોગ, કેન્સર અથવા અન્ય લાંબા ગાળાના રોગો સામે ખાસ રક્ષણ પૂરું પાડતા નથી. કેટલાક અભ્યાસોમાં તો કૃત્રિમ વિટામિનના વધુ પડતા ડોઝને જોખમી પણ ગણાવવામાં આવ્યા છે. દેખાદેખીથી ઉદ્યોગ અબજો ડોલરનો બન્યો. આજનો વૈશ્વિક મલ્ટિવિટામીન ઉદ્યોગ અબજો ડોલરનું સામ્રાજ્ય બની ગયો છે. વધતી આરોગ્ય જાગૃતિ, ફિટનેસ ટ્રેન્ડ્સ, લાંબું અને સ્વસ્થ જીવન જીવવાની ઇચ્છા તથા દેખાદેખીએ આ ઉદ્યોગને ઝડપથી આગળ ધપાવ્યો છે. જોકે, તેની લોકપ્રિયતા જેટલી મોટી છે એટલા જ મોટા પ્રશ્નો પણ તેની આસપાસ ઉભા થયા છે. આ કારણે મલ્ટિવિટામીન સમગ્ર વિટામિન ઉદ્યોગનો સૌથી મોટો સેગમેન્ટ બની ગયો છે.